બનાવી હતી, પરંતુ ચૌરી-ચૌરા ઘટના પછી તેમણે આ વિચાર છોડી દીધો. બારડોલી ટૂંક સમયમાં બ્રિટીશ સરકારની નારાજગીનું લક્ષ્ય બની ગયું. તેથી, આવકમાં બાવીસ ટકા વધારો થયો છે. ખેડુતો વિરોધ કરવાની ફરજ પડી હતી પરંતુ સરકાર બેચેની રહી. તેથી પ્રતિનિધિ મંડળ વલ્લભભાઇને મળ્યા, જેમણે પરિસ્થિતિનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને પછી ગાંધીજી સાથે વાત કરી. તેમણે તેમને કહ્યું કે, ખેડૂતોના હેતુ માટે અધિકારીઓ સામે લડવું જરૂરી છે. લોકોને બધુ બલિદાન માટે રાજી કરીને ગાંધીજીએ પોતાની રીતે પોતાનો હકાર આપ્યો અને વલ્લભભાઇ, ખેડૂત આંદોલનનું આયોજન કર્યું. તે અસહકારની ચળવળ હતી, સંપૂર્ણ અહિંસક અને શિસ્તબદ્ધ હતી. સરકારે આંદોલનકારીઓ સામે કડક કાર્યવાહી કરી પરંતુ તેઓએ નિર્ભયતાથી વલ્લભભાઇના નેતૃત્વમાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. તેમના પર તમામ પ્રકારની ક્રૂરતા લાદવામાં આવી પરંતુ ખેડૂત એકતામાં રહ્યા. તેમનું મનોબળ પણ ઉંચા પર રહ્યું. અંતે સરકારે સમાધાન કરીને બારડોલી તાલુકાના ખેડુતોની તમામ માંગણીઓ સંતોષવી પડી હતી. વલ્લભભાઇ પટેલના નેતૃત્વ હેઠળના આંદોલનને ભવ્ય સફળતા મળી હતી અને આખા દેશમાં ભાવિ અસહકારની તમામ હિલચાલ પર ભારે અસર પડી હતી. તે વલ્લભભાઇને મોટું નામ અને ખ્યાતિ અપાવ્યું. તેમની ગતિશીલ નેતૃત્વએ તેમને ગાંધીજી તરફથી સરદાર અથવા સાચા નેતાનું બિરુદ પ્રાપ્ત કર્યું. સરકારે મકાનો અને જમીનની હરાજી શરૂ કરી હતી. પરંતુ ગુજરાતમાંથી અથવા ભારતના અન્ય કોઈ પણ સ્થળેથી એક પણ પુરુષ તેમને ખરીદવા આગળ આવ્યો ન હતો. તેઓ કદી શોધી શક્યા નહીં કે વિશિષ્ટ મકાન કોની પાસે છે. જેમ જેમ ભારતીય મધ્યમ વર્ગ વધુ સમૃદ્ધ થઈ રહ્યો છે, તેમ ઉજવણી પક્ષોની સંખ્યા વધી રહી છે અને તે જ અતિથિઓની સૂચિ છે. અમારી પાસે જન્મ ઉજવણી, પ્રથમ જન્મદિવસની ઉજવણી, સગાઈઓ, લગ્ન, પ્રમોશન, સાઠમા જન્મદિવસ, લગ્નની ખુશી અને નિવૃત્તિ નીતિ માટેનાં કાર્યો છે. આ દરેકને ઘણાં લોકો આમંત્રિત કરે છે. લોકોને આવા ઉજવણી માટે આમંત્રિત કરવા એ કોઈ સમસ્યા નથી. અમે આમંત્રણો મોકલીએ છીએ, પરંતુ અમે લોકોને પૂછતા નથી કે તેઓ હાજર રહેવાનું વિચારી રહ્યા છે કે નહીં. હોસ્ટને કોઈ પ્રતિસાદ મળતો નથી અને કેટલા લોકો બતાવશે તેનો અસ્પષ્ટ વિચાર છે. ચોક્કસપણે જો વધુ લોકોએ અણધારી રીતે બતાવ્યું અને ખાવા માટે કંઈ ન હોય તો તે શરમજનક છે. તેથી તેઓ માત્ર મોટી સંખ્યામાં લોકો માટે પૂરતા પ્રમાણમાં બનાવે છે. આનાથી ખોરાક, રસોઈ ગેસ અને માનવ શક્તિનો બગાડ થાય છે. અને કારણ કે વીજળી મોંઘી હોય છે અને ખાદ્ય સ્ટોરેજ ઉપકરણો સરળતાથી ઉપલબ્ધ નથી, તેથી ખાદ્યપદાર્થોનો ખોરાક બરબાદ થઈ જાય છે. ત્યારે આપણી પાસે દેવતાઓએ ભોજન અને તેલ આપતા હોય